અને તમે આ રિંગની વ્યાખ્યા જુઓ છો આકારમાં આવવાનું શરૂ કરો. અને સો વર્ષ પહેલાં આ જ આઈન્સ્ટાઈનની આગાહી છે સીએ: હા, તે આશ્ચર્યજનક છે। તેથી અમને આના વિશે વધુ જાણવુ, આપણે ખરેખર અહીં શું જોઈ રહ્યા છીએ. સૌ પ્રથમ, તેનો ભાગ શા માટે તેજસ્વી છે બાકીના કરતાં? અને જેમ ટ્રેન ની સીટી વાગે છે એમ ઉંચી પિચ છે જ્યારે તે તમારી તરફ આવે છે, ગેસમાં વધુ ઉર્જા છે જે અમારી તરફ આવતા પાછી અમારી પાસેથી જતા કરતાં તમે નીચેનો ભાગ તેજસ્વી જોશો કારણ કે પ્રકાશ ને અમારી દિશામાં વેગ મળ્યો છે સીએ: અને તે શારીરિક રીતે કેટલું મોટું છે? એસડી: આપણે આખી સોલર સિસ્ટમ તે શ્યામ પ્રદેશમાં સારી રીતે ફિટ થશે. અને જો હું કરી શકું, તે શ્યામ પ્રદેશ સહી છે ઘટના સી શ્રીતિજની કારણ કે આપણે ત્યાંથી પ્રકાશ દેખાતો નથી, તે પ્રકાશ છે જે તે સ્થાનથી આવશે ઘટના શ્રીતિજ દ્વારા ગળી ગઈ હતી. તેથી તે તે છે. સીએ: અને તેથી જ્યારે આપણે બ્લેક હોલ વિશે વિચારો, તમે આ વિશાળ કિરણો માંથી બહાર નીકળવા નું વિચારો છો જે નિર્દેશિત છે સીધી અમારી દિશામાં. શા માટે આપણે તેમને જોતા નથી? એસડી: આ એક ખૂબ જ શક્તિશાળી બ્લેક હોલ છે. સાર્વત્રિક ધોરણો દ્વારા નહીં, તે હજી શક્તિશાળી છે, અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવોથી આ બ્લેક હોલ અમને લાગે છે કે ત્યાંથી જેટ આવી રહ્યા છે. હવે, અમે ખૂબ નજીક છીએ ખરેખર જેટની બધી રચનાઓ જોવા માટે, પરંતુ તે જેટના આધાર છે જે અવકાશ-શમયને પ્રકાશિત કરે છે. અને તે જ વળેલું છે બ્લેક હોલ ની આસપાસ. સીએ: અને જો તમે સ્પેસશીપમાં હોત તો તે વસ્તુની આસપાસ કોઈક રીતે વમળુક, તે કેટલો સમય લેશે ખરેખર તેની આસપાસ જવું છે? એસડી: પ્રથમ, હું કંઇપણ આપીશ તે સ્પેસશીપમાં હોવુ જોઇએ હાસ્ય મને શાઇન અપ કરો. ત્યાં કંઈક કહેવાય છે જો હું એક ક્ષણ માટે પણ ખરાબ થઈ શકું તો આંતરિક સ્થિ પરિપ્રત્ર ભ્રમણકક્ષા, તે અંદરની ભ્રમણકક્ષા છે પદાર્થ બ્લેક હોલની આસપાસ ફરે છે તે સ્પર્ષ થાય તે પહેલાં. અને આ બ્લેક હોલ માટે, ત્રણ દિવસથી લગભગ એક મહિનાની વચ્ચે તે બનશે સીએ: તે ખૂબ શક્તિશાળી છે, તે એક સ્તરે વિસી વિચિત્ર રીતે ધીમું છે. મારો મતલબ, તમે ધ્યાન પણ નહીં લેતા જો તમે ત્યાં હોત તો ઘટના શ્રિતિજ માં આવતા. એસ. ડી.: તેથી તમે સાંભળ્યું હશે "સ્પેગેટિફિકેશન," જ્યાં તમે બ્લેક હોલમાં પડશો અને તમારા પગ પર ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર કરતાં તમારા માથા